આલમ એ છે કે 'પઠાને' સંગ્રહની દૃષ્ટિએ ઇતિહાસ રચ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ 'પઠાન'એ કમાણીના મામલામાં સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી બે 'ને પાછળ છોડવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. 'પઠાન' આગળ નીકળી ફિલ્મ્સ ટ્રેડ એનાલિસીસ્ટ તરણ આદર્શ શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ 'પઠાણ'ની લેટેસ્ટ કમાણીના આંકડા વિશે માહિતી આપી છે. આ સાથે 'પઠાને' સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ 'બાહુબલી બે 'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે 'પઠાન' હિન્દી સિનેમાની એકમાત્ર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 'પઠાને' અનેક ફિલ્મોને પાછળ છોડી દીધા માત્ર 'બાહુબલી ટુ' જ નહીં, સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ તેના શાનદાર અભિનયના આધારે સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ ચેપ્ટર બે , ટાઈગર ઝિંદા હૈ, દંગલ અને વધુને પાછળ છોડી દીધા છે. કમાણીની બાબતમાં આ બધી ફિલ્મ પાછળ રહી ગઈ છે. આ સાથે હવે પઠાન બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની કારકિર્દીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પાંચમા સપ્તાહમાં સારી કમાણી પચ્ચીસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે સિનેમાઘરોમાં પાંચ અઠવાડિયા પૂરા કર્યા છે અને આજે છઠ્ઠા સપ્તાહ પ્રવેશ કર્યો છે. પઠાને પાંચ સપ્તાહની સફરમાં શાનદાર ગતિ બતાવી છે. શાહરૂખ ખાન ની આ ફિલ્મ સૌથી ઝડપી સો કરોડ, બસો કરોડ, ત્રણસો કરોડ, ચારસો કરોડ અને પાંસો કરોડની કમાણી કરનારી ફિલ્મ બની છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિન પઠાણમાં શાહરૂખ ખાન એક જાસૂસ એજન્ટની ભૂમિકામાં છે. સેલ્ફી-શાહજાદાને આપી માત તેને વધુ એક પુશ આપવા માટે, પઠાણના નિર્માતાઓએ એક ટિકિટ પર એક ટીકીટ ફ્રીમાં ખરીદવાની જાહેરાત કરી છે. બીજી તરફ મનોજ જોશીએ જાહેરાત કરી છે કે, તેણે સિનેમા ચેન્જમાં સેલ્ફી અને શહેઝાદા શોને બદલીને પઠાણને સ્થાન આપ્યું છે. અક્ષય અને કાર્તિક આર્યન બંનેની ફિલ્મોની બોક્સ ઓફિસ પર છબરડો જોવા મળ્યો છે.